જો કે આપણે સૌરવ ગાંગુલીના ઘરની ચોક્કસ કિંમત વિશે જાણતા હોઈએ પરંતુ કદ, સ્થાન અને હેરિટેજ મૂલ્યને કારણે અમે તે કરોડો રૂપિયા હોવાનો અંદાજ લગાવી શકીએ છીએ. સૌરવ ગાંગુલી ઘરનું સરનામું બીરેન રોય રોડ, બેહાલા, કોલકાતા, પશ્ચિમ બંગાળ. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જુઓ સૌરવ ગાંગુલી દ્વારા શેર કરાયેલ પોસ્ટ સૌરવ ગાંગુલી તેની પત્ની ડોના ગાંગુલી અને સના ગાંગુલી સાથે કોલકાતામાં તેમના ઘરે. કોલકાતાના દક્ષિણ-પશ્ચિમ ઉપનગરોમાં બનેલું સૌરવ ગાંગુલીનું ઘર એક સરળ છતાં વૈભવી એડોબ છે. ભૂતપૂર્વ ક્રિકેટર માટે સાચું આશ્રયસ્થાન જેણે આખું જીવન જ પરિસરમાં જીવ્યું છે. ઘર પાસે ઘણું બધું છે. છૂટાછવાયા બગીચાઓથી લઈને અદ્ભુત ક્રિકેટ રૂમ અને ઘરના વિવિધ ખૂણાઓ સુધી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટનની અહીં ઘણી યાદો છે અને તેઓ તેમના ઘરમાં શાંતિ અનુભવે છે. ઘરમાં નિયમિત રૂમો ઉપરાંત, જગ્યામાં એક જિમ અને લીલાછમ બગીચાઓ પણ છે જ્યાં સ્પોર્ટ્સમેન ઘણીવાર વર્કઆઉટ કરતો જોવા મળે છે. જ્યારે ઘર બહારથી પરંપરાગત લાલ અને સફેદ રંગનું છે, ત્યારે સૌરવ ગાંગુલીના ઘરની અંદર તમને મોટાભાગના રૂમમાં રંગેલું ઊની કાપડ, ભૂરા અને હાથીદાંતના સફેદ રંગના મ્યૂટ ન્યુટ્રલ ટોન જોવા મળશે. કોલકાતામાં સૌરવ ગાંગુલીના ઘરમાં વસવાટની જગ્યાઓ છે જેને ઔપચારિક અને અનૌપચારિક તરીકે વર્ગીકૃત કરી શકાય છે. ઉપરની છબીમાં તમે ઔપચારિક લિવિંગ રૂમની ઝલક જોઈ શકો છો. બ્રાઉન, ટેરાકોટા અને સફેદ શેડ્સ જગ્યાની થીમ છે. એક આકર્ષક સફેદ પલંગ જે આરામદાયક અને સ્ટાઇલિશ બંને રીતે દેખાય છે તે રૂમનું કેન્દ્રસ્થાને છે અને તેને પૂરક બનાવતું સમકાલીન સેન્ટર ટેબલ છે જેમાં માર્બલ ટેબલ ટોપ છે. રંગેલું ઊની કાપડ અને ભૂરા રંગમાં સૌરવ ગ્નાગુલી ઘરની અંદરનો અનૌપચારિક લિવિંગ રૂમ. ઘરનો અનૌપચારિક લિવિંગ રૂમ પરંપરાગત અને આધુનિકનું સરળ મિશ્રણ છે. જ્યારે છત, દિવાલો અને વુડવર્ક દાયકાઓ પહેલાની ડિઝાઈન સાથે સામ્યતા ધરાવે છે, ત્યારે સફેદ રંગમાં સુંદર કાર્પેટ સાથે જોડાયેલી ગોળાકાર બેઠકો સમકાલીન વિશ્વના તમામ સંકેતો છે. બાકીના ઘરની થીમમાં, ડાઇનિંગ રૂમમાં પણ દિવાલો પર ક્રીમ ટોન છે અને વિશાળ બારીઓ અંદર ઘણા બધા કુદરતી પ્રકાશનું સ્વાગત કરે છે. ટેબલની કાચની ટોચ કલાના સ્ટેટમેન્ટ પીસ દ્વારા રાખવામાં આવી છે અને ખુરશીઓ સફેદ અને સોનાની થીમ સાથે વિક્ટોરિયન શૈલીમાં બનાવવામાં આવી છે. ભૂલશો નહીં દિવાલ પરની અદભૂત આર્ટવર્ક જે ફક્ત આત્માને આકર્ષિત કરે છે.